આનાથી તમારે બધી જ એપ ડાઉનલોડ નહીં કરવી પડે અને તમે બ્રાઉઝર દ્વારા જ આવી એપનો ઉપયોગ વેબસાઇટ દ્વારા કરી શકો છો. બેટરીને તેના ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો તમે ઓફીસમાં હોય કે ઘરે પણ જો તમારી પાસે ચાર્જર નથી તો તમે બીજા કોઈ પણ ચાર્જરનો ઉપયોગ કરવા લાગી જાવ છો. પણ મિત્રો શુ તમને ખબર છે કે આપણે આપણા મોબાઈલ સાથે જે ચાર્જર આપેલું હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે બધા ચાર્જરના આઉટપુટ સરખા ના હોય, અમુક ચાર્જર ધીમું ચાર્જિંગ કરતું હોય તો અમુક ફાસ્ટ ચાર્જિંગ કરતું હોય એટલે એને અનુરૂપ જ મોબાઈલનું હાર્ડવેર અને એની બેટરી સેટ કરેલી હોય છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી બેટરી લાઈફમાં સુધારો તો જરૂર જોવા મળશે. તમારા મોબાઈલમાં ડાર્ક થીમ અથવા ડાર્ક વોલપેપરનો ઉપયોગ કરવો ઘણા બધા અત્યારના લેટેસ્ટ મોબાઈલ એવા આવે છે કે તેની અંદર જે ડિસ્પ્લે આપેલી હોય છે તે છે. તો આવા મોબાઈલમાં જો તમે ડાર્ક થીમ અથવા ડાર્ક વોલપેપરનો ઉપયોગ કરશો તો તમારી બેટરીનું આયુષ્ય જરૂર વધી જશે. આનું એક માત્ર કારણ એ છે કે આ ડિસ્પ્લે કલર વાળી થીમ કે પછી કલર વાળું વોલપેપરના સ્ક્રીન કલર પિક્સેલ દેખાડવા માટે લાઈટનો ઉપયોગ કરે છે જેમાં બેટરીનો ખર્ચ વધારે થાય છે. માટે તમારે બેટરી બચાવી હોય તો તમે મોબાઇલમાં ડાર્ક વોલપેપર અથવા ડાર્ક થીમ સેટ કરી શકો છો. વાઈફાઈ અને બ્લૂટૂથને જરૂર ના હોય તો બંધ કરી ને રાખો તમારે પોતાના મોબાઇલના વાઈફાઈ અને બ્લૂટૂથને કામ વગર ચાલુ ન કરવું જોઈએ કારણ કે એના લીધે તમારા મોબાઈલની બેટરીનો વપરાશ પણ થયા કરે છે. હવે આપણે થોડું વિસ્તારમાં સમજી લઈએ, જો તમારા મોબાઈલમાં વાઈફાઈ ચાલુ હશે તો તે આજુ બાજુનું નેટવર્ક સર્ચ કર્યા કરશે જેના લીધે બેટરીનો ખર્ચ થતો રહે છે. બ્લ્યુટૂથનું કામ પણ વાઈફાઈ જેવું જ છે બ્લ્યુટૂથ પણ બીજા ડીવાઈસ સાથે કનેક્ટ થવા માટે સર્ચ કર્યા કરે છે જેને લીધે બૅકગ્રાઉન્ડમાં બેટરીનો વપરાશ ચાલુ જ રહે છે. એટલે જરૂર વગર વાઈફાઈ અને બ્લટૂથ તમારે બંધ જ રાખવું જોઈએ. લોકેશન ટ્રેકિંગ બંધ રાખો મિત્રો તમારા મોબાઈલમાં એવી ઘણી બધી એપ હશે જે વારંવાર તમારા મોબાઈલનું લોકેશન ઍક્સેસ કર્યા કરતી હોય છે તો આનાથી સતત તમારા મોબાઈલની બેટરી ખર્ચ થતી હોય છે. મિત્રો તમને ખબર નહિ હોય પરંતુ હું તમને જણાવું કે લોકેશન ટ્રેકિંગ તમારા મોબાઈલની બેટરી ઝડપથી ખત્મ કરી નાખે છે. હવે જો તમારે તમારા મોબાઈલમાં લોકેશન ટ્રેકિંગ બંધ